ભગતસિંહ અને બાળકો યુવાનો: ફક્ત ત્રેવીસ વર્ષના પોતાના અતિ અલ્પ જીવનમાં પણ ભગતસિંહે નવી પેઢીને ઘણી શીખ આપી છે. ભગતસિંહનું એક વાક્ય ઘણું જાણીતું છે, "જિંદગી તો અપને દમ પે જી જાતી હૈ, દૂસરોં કે કંધે પર તો સિર્ફ જનાજે ઉઠાયે જાતે હૈ." એટલે કે, "જિંદગી તો આપણી પોતાની તાકાત પર જ જીવવાની હોય છે. બીજાનો સહારો તો અર્થી ઉઠાવવા। માટે જ લેવાનો હોય." આ વાક્ય આપણને શીખવે છે કે આપણે બીજાને સહારે નહિ બલ્કે આપબળે જ જીવવાનું છે. ભગતસિંહ માનતા કે વિચારોના આદાનપ્રદાન કરવાથી, મુક્તપણે ચર્ચા કરવાથી અને તેને અમલમાં મુકવાથી જ ક્રાંતિ સર્જાય છે. એમણે લખ્યું છે "ક્રાંતિની તલવાર વિચારોના પથ્થર પર ઘસવાથી જ ધારદાર બને છે." એમણે આપણને નવા-નવા વિચારો કરી, જગત સાથે આદાનપ્રદાન કરવાનું શીખવ્યું. ભગતસિંહે કહ્યું છે, "સામાન્યપણે લોકો ચીલાચાલુ ઘરેડથી જ ટેવાઈ ગયા હોય છે અને બદલાવના વિચાર માત્રથી જ ગભરાઈ જાય છે. આ ગાફેલપણું દૂર કરીને ક્રાંતિની જવાળા પ્રગટાવવી જોઈએ. નહીંતર સમાજ અવળે રસ્તે ફંટાઈને અધોગતિ પામશે. આવી સ્થિતિ માનવ વિકાસ માટે અડચણરૂપ બની જશે." એમણે આપણને આરામદાયક જીવન જીવ્યા કરવા કરતાં સમાજમાં બદલાવ લાવીને વિકાસ કરવાનું શીખવ્યું. ચંદ્રશેખર આઝાદ: ચંદ્રશેખર આઝાદનું બાળપણ: બાળપણમાં ચંદ્રશેખર આઝાદ ખુબ જ બહાદુર અને નીડર હતા. એક વખત દિવાળીમાં એમણે બપોરીયા એમની હથેળીમાં સળગાવ્યા હતા. એમની હથેળી ખરાબ રીતે દાઝી ગઈ હતી એટલે એમને લાગ્યું કે એમના પિતા બહુ ગુસ્સે થશે. તેઓ ઘર છોડી જંગલમાં ભાગી ગયા! તેઓ બાળપણમાં એમના ગામની શાળામાં ભણવા તો બેઠા પરંતુ એમને ભણવામાં ખાસ રસ પડતો નહિ. તેઓ આદિવાસી છોકરાઓ સાથે રખડયા કરતા અને તીર કામઠાં રમકડાં હોય એમ રમ્યા કરતા. એમને ગ્રામ્ય જીવન બહુ પસંદ નહોતું પડતું એટલે તેઓ કોઈને કહ્યા વિના ઘર છોડી ભાગી ગયા. ત્યારે તેઓ ચૌદ વર્ષના જતા હતા. થોડા સમય બાદ એમણે માતા પિતાને પત્ર લખી જણાવ્યું કે તેઓ કાશીમાં એક પાઠશાળામાં સંસ્કૃત શીખવા પહોંચી ગયા છે. આપણે સૌ એમના જીવનની એક પ્રખ્યાત ઘટના વિષે જાણીએ જ છીએ કે ફક્ત પંદર વર્ષની ઉંમરે એમણે કોર્ટના જજને એમ કહ્યું હતું કે તમારુ નામ આઝાદ છે, અને જેલ એ મારું ઘર છે. જજે એમને ચાબુકના ફટકા મારવાની સજા ફરમાવી. એમને બરડા પર ચાબુકના ફટકા પડતા હતા ત્યારે તેઓ "ભારત માતા કી જય", "મહાત્મા ગાંધી કી જય" એવા નારા લગાવતા હતા. આ બનાવ પછી તેઓ આઝાદ તરીકે પ્રખ્યાત થયા. ચંદ્રશેખર આઝાદનો યુવાનો માટે સંદેશ: ચંદ્રશેખર આઝાદે નવી પેઢીના યુવાનોને કેટલાક ઉપયોગી